પરંપરાગત ડિઝાઇનને સંતુલિત કરવા માટે કુદરતી લાકડું અને ગામઠી તત્વો લાવો. લિવિંગ રૂમની ડિઝાઇન સાથેનું ગામઠી ખુલ્લું રસોડું તમને સરળ સમયમાં પાછા લાવશે. લિવિંગ રૂમ સાથે બીચ ડિઝાઇન, કિચન લિવિંગ રૂમની ડિઝાઇન સાથેનું બીચ પ્રેરિત રસોડું દરિયા કિનારે વાઇબ આપે છે. લિવિંગ રૂમ ડિઝાઇન સાથે મનોરંજક કોસ્ટલ કિચન સાથે તમારા ઘરમાં બીચ લાવો. લિવિંગ રૂમ સાથેનું ઓપન-કન્સેપ્ટ કિચન લોકોને એવું અનુભવવામાં મદદ કરે છે કે તેઓ દરિયા કિનારે આવેલા બંગલામાં છે. તમારી જગ્યાને વાઇબ્રન્ટ બીચ હાઉસ જેવી બનાવવા માટે દરિયાઇ રંગો અને દરિયાઇ ઉચ્ચારો સામેલ કરવાનો પ્રયાસ કરો. લિવિંગ રૂમની સજાવટ સાથે ઓલ-વ્હાઈટ કિચન લિવિંગ રૂમ ડિઝાઇન આઇડિયા સાથેનું ઓલ-વ્હાઇટ કિચન ક્લાસી લુક આપે છે. ઓલ-વ્હાઈટ કિચન-કમ-લિવિંગ એરિયા વિશે કંઈક તાજું અને સંતોષકારક છે જે એક નૈસર્ગિક દેખાવ આપે છે. તમે સ્લીક લુક આપવા માટે સફેદ લેકક્વર્ડ ફિનીશ, તમારી દિવાલો પર લાઇટ ટોન, સફેદ ફર્નિચર અને મેટાલિક એક્સેંટનો ઉપયોગ કરી શકો છો. લિવિંગ રૂમ સાથેના કિચન માટે ડાર્ક અને ડ્રામેટિક ઇફેક્ટ ડાર્ક ટોન લિવિંગ રૂમની ડિઝાઇન સાથે રસોડામાં નાટકીય આકર્ષણ આપે છે. લિવિંગ રૂમની ડિઝાઇન સાથેનું શ્યામ અને નાટકીય રસોડું નાના વિસ્તારમાં ઊંડાઈ અને પરિમાણ ઉમેરીને વધુ વિસ્તૃત જગ્યાનો ભ્રમ બનાવે છે. તમે તમારા કેબિનેટ પર ડાર્ક મેટ ફિનિશ, કાળા ફર્નિચર, અંધકારને સંતુલિત કરવા માટે દિવાલો પર હળવા રંગછટાનો ઉપયોગ કરીને અને ડ્રામાનો અંતિમ સ્પર્શ ઉમેરતા સ્ટેટમેન્ટ આર્ટ પીસનો ઉપયોગ કરીને વિચારને સમાવી શકો છો. લિવિંગ રૂમ સાથે વિન્ટેજ ગ્લેમર કિચન, લિવિંગ રૂમ સાથેનું રસોડું વિન્ટેજ ડેકોરમાં તૈયાર કરવામાં આવ્યું છે જે સર્વોપરી દેખાવ આપે છે. વિન્ટેજ ગ્લેમર શૈલી બોલ્ડ રંગો અને લાકડાના ઉચ્ચારો વિશે છે. તે પરંપરાગત ભારતીય ઘરની યાદ અપાવે છે. તમે વાઇબ્રન્ટ કાર્પેટ અને બોલ્ડ લાકડાના ફિક્સરનો ઉપયોગ કરીને તમારા કિચન-કમ-લિવિંગ એરિયામાં દેખાવ પ્રાપ્ત કરી શકો છો. લિવિંગ રૂમ ડિઝાઇન સાથે આર્ટ ડેકો કિચન, લિવિંગ રૂમ ડિઝાઇન આઇડિયા સાથેનું સમકાલીન રસોડું તેની સૌંદર્યલક્ષી આકર્ષણને વધારે છે. લિવિંગ રૂમની ડિઝાઇન સાથેનું કલાત્મક રસોડું લક્ઝરી, ગ્લેમર અને અભિજાત્યપુણ્ય દર્શાવે છે. તમે તમારા રસોડામાં પાસાઓને ભૌમિતિક પેટર્ન, ક્રોમ ફિનિશ, સમપ્રમાણ ડિઝાઇન, સ્ટેટમેન્ટ લાઇટિંગ અને બોલ્ડ ઉચ્ચારો સાથે વૈભવી અનુભવ આપીને વસવાટ કરો છો વિસ્તાર સાથે સમાવી શકો છો. તમે સૂક્ષ્મ દેખાવ માટે તટસ્થ શેડ્સ પણ ઉમેરી શકો છો અથવા નિવેદન આપવા માટે બોલ્ડ અને હિંમતવાન રંગોનો ઉપયોગ કરી શકો છો. લિવિંગ રૂમ ડિઝાઇન આઇડિયાઝ સાથે કિચનનું નિષ્કર્ષ તમારા આધુનિક ઓપન-કન્સેપ્ટ કિચન અને લિવિંગ રૂમ સ્પેસ માટે સુંદર ડિઝાઇન વિચારોનો સમાવેશ તમારા ઘરને વધુ આનંદપ્રદ બનાવી શકે છે.